ગરમીનો તિવ્ર પ્રકોપ વેઠી રહેલા ગુજરાતને હવામાનમાં ફેરફારનો અનુભવ આજથી ચૌદ જુન દરમ્યાન થવાની આગાહી છે. તો બીજી બાજુ મુખ્યમંત્રી વિજય રૂપાણી રાહત બચાવની વ્યવસ્થા ગોઠવવા માટે તંત્રને સતત દોરવણી આપી રહ્યા છે અને આફતને સમયે પ્રજાની વહારે થવા દરેક મંત્રીને પોતાના વિસ્તારમાં હાજર રહેવા કહ્યું છે .સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતની દરિયાઈ પટ્ટીમાં રાહત બચાવનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવા તંત્રને દોરવણી આપતા મુખ્યમંત્રી રૂપાણી આફત સમયે જનતાની વહારે થવા દરેક મંત્રીને જિલ્લામાં હાજર રહેવા કહ્યું. સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આવતીકાલે વહેલી સવારે વાયુ વાવાઝોડુ ત્રાટકશે તેવી આગાહી હવામાન ખાતાએ બહાર પાડી છે. બેઠકબાદ પત્રકારો સાથે વાતચીત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આ વાવાઝોડાથી સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાંથી કુલ આશરે ત્રણ લાખ લોકોનું આજે સ્થળાંતર કરાશે .આકાશવાણીનું પ્રસારણ અવિરત સાંભળી શકાય તે માટે ટ્રાન્ઝીસ્ટર રેડિયો હાથવગો રાખવો .ગુજરાતમાં વાવાઝોડાની આગાહીના પગલે ભાજપા દ્વારા વાવાઝોડાગ્રસ્ત નાગરિકોની સહાય માટે રાઉન્ડ ધ ક્લોક કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે વહીવટીતંત્ર અને સુરક્ષા ટીમો ખડે પગે એનડીઆરએફની કુલ છત્રીસ ટીમો કાર્યરત બની વાયુ વાવાઝોડાને પગલે આગામી ત્રણ દિવસમાં તારાજી ફેલાવાની શક્યતાને ધ્યાનમાં લઈ રાજ્યસરકાર દ્વારા રાહત બચાવનું આગોતરૂ આયોજન હાથ ધરાયું છે. વાવાઝોડાગ્રસ્ત બનવાની સંભાવના ધરાવતા જિલ્લામાં શાળા,કોલેજ અને આંગણવાડી કેન્દ્ર બે દિવસ બંધ રહેશે માછીમાર અને અગરિયા માટે સલામત સ્થળે ખસી જવું અનિવાર્ય છે. વાવાઝોડા સાથે ભારે વરસાદ પડવા જેવી કુદરતી આફત સમયે સજ્જ સતર્ક અને સાવધાન હોય તેવા લોકો જાનમાલનું નુકશાન થતું મોટાપાયે અટકાવી શકે છે .અલંગ શીપ બ્રેકીંગ યાર્ડમાં પણ કામકાજ બંધ કરી મજૂરોને સલામત સ્થળે ખસેડી દેવાયા છે. વાવાઝોડાથી અસરગ્રસ્ત બનવાની સંભાવના ધરાવતા બેટ દ્વારકામાં ગીર સોમનાથમાં પાંચ રાજકોટ અમરેલીમાં ચાર જૂનાગઢ પોરબંદર ભાવનગરમાં પ્રત્યેક ત્રણ ટીમો એનડીઆરએફ કાર્યરત થશે .રાત્રીના સમયમાં વાદળોના ગડગડાટ અને વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો ગીર સોમનાથમાં પણ વેરાવળ રેન્જના તેર સિંહોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયા છે. આવતીકાલે સવારે વાવાઝોડું ત્રાટકવા સાથે ભારે વરસાદ સૌરાષ્ટ્રના તમામ દરિયાઇ જિલ્લામાં પડવાની આગાહી છે. જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને તમામ તાલુકાના જવાબદાર અધિકારીઓની બેઠક બોલાવી સાવચેતીના ઉપાય હાથ ધર્યા છે .સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ સેન્ટર દ્વારા બહાર પાડવામાં આવેલી સલાહ પ્રમાણએ ગ્રામવાસીઓને પોતાના મકાનની હાલત ચકાસવા કહેવાયું છે .વાયુ વાવાઝોડાને પગલે દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે દરિયાકાંઠાના તમામ જિલ્લાઓમાં સરકારી કર્મચારીની રજા રદ કરી સૌને ફરજ ઉપર હાજર થવાના હુકમ કરાયા છે .પંદર વાયું વાવાઝોડા અંગે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે હાઈ એલર્ટ જાહેર કરાયું .આવતીકાલે વહેલી સવારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ત્રાટકવાની આગાહી રાજ્ય ઉપર વાવાઝોડાંનું સંકટ તોળાતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહે તાકીદની બેઠક બોલાવી .જ્યારે ચાર હજાર જેટલા માછીમારોને દરિયામાંથી પર બોલાવી લેવાયા છે કાચું મકાન આવા સમયે છોડી દેવું પડે વાયુ વાવાઝોડાની સંભવિત આપત્તિ સામે કચ્છમાં કંડલા મહાબંદર ઉપરાંત મુંદ્રા જખૌ અને માંડવી બંદરે તકેદારીના પગલા લેવાઈ રહ્યા છે. દૂર છે રાજ્યમાં સંભવિત વાયું વાવાઝોડાને ધ્યાનમાં લઈ ગુજરાતના દરિયાકાંઠે હાઈ એલર્ટ જાહેર કરાયો છે. રાજ્યના વાતાવરણમાં ગઇકાલે સાંજે અચાનક પલટો આવ્યો છે.